ફક્ત એક સીએઆર ટી સેલ મારી શકે સે વન થૉઉસન્ડ ગાંઠ કોષો. તે સાચું સે. તે ગુણોત્તર છે એક હજાર થી. સીએઆર ટી સેલ અને તેની પુત્રી સંતાન કોષો વિભાજીત અને વિભાજિત કરી શકો છો અને શરીરમાં વિભાજન છેલ્લું ગાંઠ કોષો ન જાય ત્યાં સુધી આ માટે કોઈ દાખલો નથી કેન્સરની દવામાં. પ્રથમ બે દર્દીઓ જેમને સંપૂર્ણ માફી હતી આજે લ્યુકેમિયા મુક્ત રહો. અમણે લાગે છે કે તેમણે મટી ગયું છે. આ લોકો છે જેમની પાસે કોઈ વિકલ્પ નથી અને બધી પરંપરાગત પદ્ધતિઓ દ્વારા તેઓ આધુનિક સમયના લાજરસના કિસ્સા જેવા હતા. હું ફક્ત એટલું જ કહી શકું, "આભાર રસ્તામાં આવેલા તે કાંટો માટે". અમારું આગલું પગલું પરવાનગી લેવાનું હતું તીવ્ર લ્યુકેમિયાવાળા બાળકોની સારવાર માટે, બાળકોમાં કેન્સરનું સૌથી સામાન્ય સ્વરૂપ. પહેલા દર્દીની અમે નોંધણી કરી ટ્રાયલ પર એમિલી વ્હાઇટહેડ હતી. અને તે સમયે તે છ વર્ષની હતી. તે કીમોથેરાપીની શ્રેણીથી પસાર થઈ ગઈ હતી અને રેડિયેશન સારવાર ઘણા વર્ષોથી અને તેનો લ્યુકેમિયા હંમેશાં પાછો આવ્યો. હકીકતમાં તે ત્રણ વખત પાછો આવ્યો હતો. જ્યારે અમે તેને પ્રથમ વખત જોયું, એમિલી ખૂબ માંદગીમાં હતી. તેણીનું સત્તાવાર નિદાન અદ્યતન અસાધ્ય લ્યુકેમિયા હતું. કેન્સર તેના અસ્થિ મજ્જા, તેના યકૃત, તેના બરોળ પર હુમલો કર્યો હતો અને જ્યારે અમે તેને રેડ્યું સીએઆર ટી કોષો સાથે એપ્રિલની વસંત પછીના કેટલાક દિવસોમાં તે સારી ન થઈ. તે વધુ ખરાબ થઈ ગઈ અને હકીકતમાં, તે વધુ ખરાબ. અમારા જેલ સુધારણા અધિકારી તરીકે તે આઈસીયુમાં દાખલ થઈ હતી અને આ સૌથી ભયંકર કાંટો હતો આ વાર્તાના આખા રસ્તામાં. અમે બધા ચેપ માટે રક્ત પરીક્ષણો કર્યા અને અમે તેના તાવ માટે ચેપી કારણ શોધી શક્યા નહીં પરંતુ લોહીમાં અમને કંઈક અસામાન્ય મળ્યું જે દવામાં પહેલાં ક્યારેય જોવા ન મળ્યું. તેનામાં પ્રોટીનનું સ્તર એલિવેટેડ હતું. ઇન્ટરલ્યુકિન સિક્સ, અથવા આઇએલ સિક્સ તેના લોહીમાં. તે હકીકતમાં સામાન્ય સ્તરથી હજાર કરતા વધુ હતો અને અહી રસ્તામાં બીજો કાંટો આવ્યો. સંપૂર્ણ સંયોગ દ્વારા મારી એક દીકરીનું એક સ્વરૂપ છે બાળરોગના સંધિવા. અને પરિણામે એક કેન્સર ડૉક્ટર તરીકે હતો પ્રાયોગિક ઉપચાર મારી પુત્રી અને સંધિવા માટે જો તેને તેની જરૂર હોય તો. આવું થયું એના થોડા મહિનાઓ પહેલાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી એફડીએ દ્વારા નવી ઉપચારની મંજૂરી આપવામાં આવી હતી ઇન્ટરલેયુકિન સિક્સ ના એલિવેટેડ સ્તરની સારવાર માટે અને સંધિવા માટે તેને મંજૂરી આપવામાં આવી હતી. મારી પુત્રી ને તેને કહેવામાં આવે છે. હકીકતમાં, હમણાં જ ઉમેરવામાં આવ્યું હતું એમિલીની હોસ્પિટલમાં ફાર્મસીમાં.